અજમાયશના અંતે, ટીબીની ઘટનાઓ બાદની સરખામણીમાં અગાઉના જૂથમાં ઓગણચાલીસ ટકા ઓછી હતી. એક ટકા વજન વધવા પર મૃત્યુનું જોખમ તેર ટકા અને પાંચ ટકા વજન વધવા પર એકસઠ ટકા સુધી ઘટ્યું હતું. આ તારણો, એવા સમયે આવ્યા છે જ્યારે કેન્દ્ર ટીબીને નાબૂદ કરવા માંગે છે, તેની નીતિ અમલીકરણ સ્તરે અસરો થઈ શકે છે. રાષ્ટ્રીય કાર્યક્રમ હેઠળ, ટીબીના દર્દીઓને તેમની સારવારના સમયગાળા માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા પાંચસો રૂપિયાની માસિક પોષણ સહાય આપવામાં આવે છે અને નિ-ક્ષય મિત્ર કાર્યક્રમ હેઠળ, સ્વયંસેવકો તેમના "દત્તક લીધેલા" દર્દીઓને માસિક પોષણ કીટ પ્રદાન કરી શકે છે. રોગશાસ્ત્ર અને સંચારી રોગો વિભાગના વડા, ડોક્ટર નિવેદિતા ગુપ્તાએ જણાવ્યું હતું કે, "ભવિષ્યમાં આપણે ટીબીનો કેવી રીતે સામનો કરી શકીએ તેના પર તારણો પ્રકાશ પાડે છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે અભ્યાસ નોંધપાત્ર છે કારણ કે કુપોષણ હવે વૈશ્વિક સ્તરે ટીબી માટે અગ્રણી જોખમ પરિબળ તરીકે ઉભરી આવ્યું છે અને સરળ ડાયટ અસરકારક હોવાનું જણાયું છે. "અજમાયશના પરિણામો નોંધપાત્ર છે કારણ કે તે દર્શાવે છે કે કુટુંબના સભ્યોમાં સુધારેલ પોષણ ગ્રુપ લેવલ એ કામ કરે છે." એમએસ સ્વામીનાથન રિસર્ચ ફાઉન્ડેશનના ચેરપર્સન અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક ડોક્ટર સૌમ્યા સ્વામીનાથને જણાવ્યું હતું કે, " આ અભ્યાસ વિશ્વમાં પહેલો અભ્યાસ છે અને પ્રશ્ન એ હતો કે શું યોગ્ય પોષક ટીબીની ઘટનાઓને ઘટાડી શકે છે. " તેમણે ઉમેર્યું કે, "તે અદ્ભુત છે કે ભારત તરફથી પુરાવા આવી રહ્યા છે જે વૈશ્વિક નીતિને પણ જાણ કરશે. અનિવાર્યપણે, એક સારું પોષણ પેકેજ કે જે નોંધપાત્ર પ્રમાણમાં કેલરી, પ્રોટીન અને સૂક્ષ્મ પોષકતત્ત્વો પ્રદાન કરે છે તે ટીબીના દર્દીઓના ઘરના સભ્યોને આપવું જોઈએ. અભ્યાસ મુજબ, ટીબીના એક પણ કેસને રોકવા માટે, લગભગ ત્રીસ પરિવારો અને લગભગ સુડતાલીસ દર્દીઓને પોષણ સહાય પૂરી પાડવાની જરૂર પડશે. ફૂડ બાસ્કેટનો માસિક ખર્ચ દર્દી દીઠ અગયારસો અને સંપર્ક દીઠ ત્રણસો પચીસ હતો. ટીબીના દર્દીઓને છ મહિના માટે માસિક દસ કિલો ફૂડ બાસ્કેટ અને મલ્ટીવિટામિન્સ મળ્યા હતા. પરિવારના સભ્યોમાં, હસ્તક્ષેપ ગ્રુપને દર મહિને માથાદીઠ પાંચ કિલો ચોખા અને એક પોઈંટ પાંચ કિલો કઠોળ પ્રાપ્ત થયા હતા. ઝારખંડને અજમાયશ સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું હતું કારણ કે તેમાં ટીબીના કેસો વધારે છે અને મલ્ટી ડાયમેંશનલ ગરીબીનું ઊંચું પ્રમાણ છે. ડોક્ટર ભાર્ગવે કહ્યું કે, "ઓછા ખર્ચે ખોરાક-આધારિત પોષક પ્રોગ્રામ ટીબીને નોંધપાત્ર અંશે અટકાવી શકે છે તે ખૂબ જ પ્રોત્સાહક છે.